સ્લો લર્નરનો છેદ ઉડાવતા તેઓ કહે છે કે ખરા અર્થમાં બધાવિદ્યાર્થીઓ સરખા હોય છે ફક્ત જરૂરત છે તેમને કઈ પદ્ધતિથી શીખવીએ તો તેને યાદ રહી શકે, ગ્રીનવેલી સ્કૂલ તમામ બાળકો માટે સમાન નજરીયો કેળવી વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલી એટલે કે જીવન જીવવામાં ઉપયોગી તથ્યો શીખવે છે અને વસુદૈવ કુટુંબકમની ભાવના સાથે સંસ્કારોનું સિંચન કરે છે. અંતમાં તેઓ પ્રવર્તમાન શિક્ષણ પધ્ધતિ અંગે ટકોર કરતા કહે છે કે જાપાન જેવા ટચુકડા દેશ વિજ્ઞાન સાહિત્ય સહિતના વિષયોમાં નોબેલ પ્રાઈઝ મેળવી શકે છે જ્યારે આપણા દેશમાં સવાસો કરોડની વસ્તી હોવા છતાં નોબલ મેળવી શકતા નથી,સ્થિતિ માટે નિરંતર ચાલતી શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર કરી વિદ્યાર્થીને પ્રયોગશીલ શિક્ષણ આપવું જરૂરી હોવાનું ભારપૂર્વક તેઓએ અંતમાં જણાવ્યું હતું. સંજોગોમાં મોરબીના આંગણે બાળકોના સર્વાંગી વિકાસ માટે વિશેષ તક રાહ જોઈ રહી છે ત્યારે પોતાના બાળકના ભવિષ્યને ધ્યાને લઇ એક વખત અચૂકપણે ગ્રીનવેલી સ્કૂલની મુલાકાત લેવીજોઈએ વધુ વિગતો માટે સ્કૂલના સંપર્કની માહિતી. સ્કૂલ કેમ્પસ લજાઈ ચોકડી, મોરબી-રાજકોટ હાઇવે, મોરબી. પી. ડી. કાંજીયા સાહેબની આગેવાની હેઠળ કે. જી. થી કોલેજ સુધી ક્વોલિટી એજ્યુકેશન આપતા મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા હવે મોરબીમાં નવી શરૂઆત રૂપે નવયુગ કિડ્સ એકેડમીનો પ્રારંભ કરવામાં આવ્યો છે જયાં બાળકોને આધુનિક પદ્ધતિથી ભાર વગરનું ભણતર અનેપણ બાળક ખીલી ઉઠે તેવી સ્માર્ટ પદ્ધતિથી આપવામાં આવશે, સાથેસાથે આજના સમયમાં વિસરાઈ રહેલી સયુંકત કુટુંબની ભાવના પણ બાળકમાં કેળવાય તેવા પ્રયાસો કરાશે.